સહિત તમામ ચીની મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, ચીનની મોટાભાગની હોસ્પિટલો ઓછા ડોકટરો અને વધુ દર્દીઓની સમસ્યાનો સામનો કરી રહી છે. ઘરે સારવાર માટે સલાહ આપવામાં આવી રહી છે: આ જ કારણ છે કે ચીનમાં આરોગ્ય નિષ્ણાતો વિવિધ માધ્યમો દ્વારા લોકોને હોસ્પિટલમાં ભીડ ન કરવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ જો ચેપ લાગે તો ઘરે જ પોતાને અલગ રાખવા અને ફ્લૂની દવાઓ અથવા ઘરે પરંપરાગત દવાઓથી સારવાર કરો. જો કે સામાન્ય લોકોની મુશ્કેલીઓનો અહીં અંત આવતો નથી. હકીકતમાં ચીનમાં નિયમિત દવાઓની પણ અછત છે. વધતી માંગની સરખામણીમાં દવાઓનો પુરવઠો ઘણો ઓછો છે. ચાઈનીઝ ફાર્મસીમાં દવાઓની ભારે માંગનું કારણ થોડા વર્ષો પહેલા બનાવેલ એક નિયમ છે. આ મુજબ અમુક પ્રકારની દવાઓ જેવી કે એન્ટિપાયરેટિક, એન્ટિવાયરલ, એન્ટિબાયોટિક્સ, ખાંસી અને શરદીની દવાઓ ખરીદવા માટે વાસ્તવિક નામથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ચીને ઝીરો કોવિડ પોલિસી હટાવી: ચીનમાં કોરોના સમયગાળાની શરૂઆતથી જ ઝીરો કોવિડ પોલિસી અમલમાં હતી. પરંતુ ભારે વિરોધને કારણે થોડા અઠવાડિયા પહેલા તેને હટાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા. આ પછી લોકોએ ઘરમાં દવાઓનો સંગ્રહ શરૂ કરી દીધો, જેના કારણે સંક્રમિત લોકોને આઇબુપ્રોફેન અને એસિટામિનોફેન જેવી સામાન્ય દવાઓ પણ નથી મળી શકતી. એટલું જ નહીં, નિષ્ણાતોએ ચીનમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે સ્વાસ્થ્ય ક્ષમતાઓમાં અસમાનતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો ચીનના ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાના કેસ વધવા લાગે તો નવી સમસ્યા ઊભી થઈ શકે છે.,..